હોમ વીડિયો સર્ચ ઈ-પેપર ટૉપ ન્યૂઝ મારું શહેર મારું ગુજરાત ભાસ્કર ખાસ ઓરિજિનલ ક્રિકેટ ભાસ્કર ફિલ્મ એવોર્ડ્સ એન્ટરટેઇનમેન્ટ ઈન્ડિયા ધર્મ દર્શન સ્પોર્ટ્સ વર્લ્ડ યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન પ્રથમવાર પ્રિ-મોન્સુન સફાઈમાં કોર્પોરેટરો મેદાને: મેયરના આદેશથી અઢાર વોર્ડમાં જાત-નિરીક્ષણ શરૂ, દિલ્હીની ટીમને બતાવવા દેખાડો, ગ્રાઉન્ડ પર 'લોલમ લોલ': વિપક્ષ કૉપી લિંક રાજકોટ શહેરમાં આગામી ચોમાસાની ઋતુમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યાઓથી નાગરિકોને બચાવવા માટે મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. મેયર ડો. નેહલ શુક્લએ તમામ વહીવટી અધિકારીઓને આ કામગીરીને પ્રાથમિકતા આપી સમયસર પૂર્ણ કરવા વોંકળા અને મેનહોલ સફાઈના સત્તાવાર આંકડા અને ડેડલાઇનમાં મોટો ફેરફાર મેયર ડો. નેહલ શુક્લએ સત્તાવાર વિગતો આપતા જણાવ્યું કે, રાજકોટ શહેરમાં આશરે ચોપન હજાર જેટલા મેનહોલ અને ત્રેચઠ જેટલા મુખ્ય વોંકળા આવેલા છે. તંત્રના રિપોર્ટ અનુસાર, અત્યાર સુધીમાં પચાસ હજાર જેટલા મેનહોલ અને ઓગન પચાસ વોંકળાની સફાઈ સંપૂર્ણપણે પૂર્ણ કરી લેવામાં આવી છે, જ્યારે બાકીના વિસ્તારોમાં કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. મેયરે વધુમાં ઉમેર્યું કે, સામાન્ય રીતે દર વર્ષે પ્રિ-મોન્સુન કામગીરી પૂર્ણ કરવા માટે પંદર જૂનની ડેડલાઇન રાખવામાં આવતી હોય છે. પરંતુ હવે ચોમાસાની બદલાતી સ્થિતિ અને વહેલા આગમનની સ્થિતિને ધ્યાનમાં રાખીને, આગામી વર્ષોથી આ સત્તાવાર ડેડલાઇન પંદર જૂનને બદલે વીસ મે રાખવા માટેની કડક વહીવટી સૂચના આપી દેવામાં આવી છે. વોર્ડ-તેર માં રાત્રિ સફાઈનું આયોજન, શાસક પક્ષનો દાવો બીજી તરફ, વોર્ડ નંબર તેર માં ચાલી રહેલી કામગીરી અંગે ભાજપના કોર્પોરેટર મોહિતસિંહ જાડેજાએ જણાવ્યું કે, મેયરના વિઝન મુજબ વોર્ડના ચારેય કોર્પોરેટરો સંગઠનના હોદ્દેદારો અને અધિકારીઓને સાથે રાખીને ગોંડલ રોડના મુખ્ય વોંકળાનું રૂબરૂ સુપરવિઝન કરી રહ્યા છે. આ ઉપરાંત, મવડી રોડ, કૃષ્ણનગર મેઈન રોડ અને દોશી મેઈન રોડ પર આવેલી ભૂગર્ભ લાઈનો તેમજ પાણીના નિકાલની વ્યવસ્થા માટે રાત્રિ દરમિયાન સફાઈનું ખાસ આયોજન કરાયું છે, જેથી નાગરિકોને મુશ્કેલી ન પડે. આગામી પાચ વર્ષ સુધી વોર્ડના સર્વાંગી વિકાસ માટે આખી ટીમ કટિબદ્ધ છે. દિલ્હીની ટીમ શહેરમાં સર્વે કરવા આવી છેઃ વિપક્ષ મનપાની આ કામગીરી સામે વિપક્ષે તીખા સવાલો ઉઠાવ્યા છે. વોર્ડ નંબર તેર ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે આક્ષેપ કર્યો છે કે, હાલમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કેન્દ્રીય દિલ્હીની ટીમ શહેરમાં સર્વે કરવા આવી છે. મનપાના શાસકો આ ટીમને માત્ર એવા જ વિસ્તારોમાં લઈ જઈ રહ્યા છે, જ્યાં થોડી ઘણી સફાઈ થઈ છે, બાકીના વિસ્તારોમાં તંત્રની કામગીરી માત્ર 'લોલમ લોલ' છે. તેમણે સોશિયલ મીડિયા અને ગ્રાઉન્ડ રિયાલિટીનો હવાલો આપતા જણાવ્યું કે, આ કોઈ એઆઈ દ્વારા બનાવેલા ફોટા કે વીડિયો નથી, પરંતુ વાસ્તવિકતા છે. ગોકુલધામ આવાસ, સમ્રાટ આવાસ, નવલનગર.